પહલાજ નિહલાનીએ કહ્યું હતું, " 'શોલા ઔર શબનમ' દરમિયાન અમે વીસ કલાક શૂટિંગ કરતા હતા. અમે સવારથી શૂટિંગ શરૂ કરતા હતા અને ત્યારબાદ બેક ટુ બેક સીન, પછી ડાન્સ અને પછી બીજા સીન શૂટ થતા હતા. એક દિવસ મને યાદ છે કે અમે ઊટીમાં શૂટ કરી રહ્યા હતા, અને દિવ્યાનો પગ એક ખીલી પર પડી ગયો. તેમણે કોઈને કંઈ જણાવ્યું નહીં. હું મોનિટર પાસે ઊભો હતો, જ્યારે દિવ્યા શૂટ માટે પાછી આવી. તેમણે કોઈને ખબર પડવા દીધી નહીં કે તેમને ઈજા થઈ છે. હું પણ સમજી શક્યો નહીં, પછી તેમણે મારી પાસેથી રૂમાલ માંગ્યો અને પોતાના પગમાં થયેલા ઘા પર બાંધી લીધો." મેં તેમને પૂછ્યું કે, શું થયું? તો તે કંઈ બોલ્યા નહીં, પરંતુ મેં તેમના પગમાંથી લોહી વહેતું જોયું તો પછી તરત જ પેકઅપ કરાવી દીધું." ઇનકાર છતાં જબરદસ્તી સેટ પર પહોંચ્યા હતા દિવ્યા ભારતી. તેમણે કહ્યું હતું કે, "પેકઅપ છતાં તે શૂટિંગ કરવા પર અડગ રહી, મારાથી જોયું નહોતું જતું પણ આટલી ઈજા થવા છતાં તેમના ચહેરા પર કોઈ પીડા નહોતી. મેં ફાઇનલ પેકઅપ કર્યું અને પ્રોડક્શનવાળાઓને જાણ કરી દીધી કે બીજા દિવસે શૂટિંગ નહીં થાય પણ દિવ્યા માની નહીં. મેં તેમની માતાને કહી દીધું હતું કે બીજા દિવસે દિવ્યાને શૂટિંગ પર ન મોકલે જેથી તે આરામ કરી શકે. પણ સવારે છ વાગ્યે, દિવ્યા સેટ પર આવી ગઈ, અને હાઉસ-કીપિંગ પાસેથી ચાવી લઈને મારી પાસે પહોંચી, અને કહ્યું, 'ચલો ઉઠો, તમે હજી સુધી કેમ સૂઈ રહ્યા છો?' તે પોતાની વહેંચણીને કારણે શૂટ કેન્સલ કરવા માંગતી નહોતી અને પછી તે શૂટિંગ કરીને જ માની. તેમની સાથે મારી ઘણી શ્રેષ્ઠ યાદો છે." રીટેકથી ગુસ્સે થયા ધર્મેન્દ્ર પહેલજને કહ્યું હતું, "શું હું નવો કલાકાર છું?" ઓગરીસો સત્યાસી ની ધર્મેન્દ્ર અભિનીત ફિલ્મ 'આગ હી આગ' પહલાજ નિહલાનીએ પ્રોડ્યુસ કરી હતી, જ્યારે તેમના ડિરેક્ટર શિબુ મિત્રા હતા. શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રને એક સીન માટે પંદર રીટેક આપવા પડ્યા, જેનાથી તેઓ ગુસ્સે થઈ ગયા અને ડિરેક્ટરને ખૂબ ખરી-ખોટી સંભળાવી. આ ફિલ્મમાં તેમની સાથે શત્રુઘ્ન સિંહા, નીલમ કોઠારી, ચંકી પાંડે અને ગુલશન ગ્રોવર સહિત ઘણા કલાકારો જોવા મળ્યા હતા. ડિરેક્ટરને સંભળાવ્યા પછી ધર્મેન્દ્રએ સેટ પર બધાની સામે ગુસ્સામાં પહલાજ નિહલાનીને કહ્યું હતું- "પહલાજ, શું હું કોઈ નવો કલાકાર છું? જે તમે મારી પાસે ટેક પર ટેક કરાવી રહ્યા છો." ઘણા લોકોએ તેમના પર ફિલ્મોમાંથી હિંસક અને ઇન્ટિમેટ સીન અકારણ નાના કરવાના આરોપો લગાવ્યા હતા અને તેના કારણે તેમનો કાર્યકાળ વિવાદિત રહ્યો હતો.